આના જવાબમાં નકવીએ કહ્યું, "મને લાગે છે કે, તમે જય શ્રી રામની જે વાત કરી રહ્યા છો, તે જય શ્રી રામ ગળુ દબાવીને ન બોલાવી શકાય. જેઓ એવું વિચારતા હોય છે કે તેઓ ગળુ દબાવીને જય શ્રી રામના નારા લગાવવા મા માટે દબાણ કરશે તો તે બળજબરીનો વિષય છે. યોગીએ બકરીદ પર કેરીઓ મોકલી નકવીએ એમ પણ કહ્યું કે, દરેક ઈદ-બકરીઈદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યોગી આદિત્ય નાથ તેમને ફોન પર શુભેચ્છા પાઠવે છે. યોગી તો ભેટ પણ મોકલે છે. તેમણે એ પણ જણાવ્યું કે, આ બકરી ઈદ પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરફથી કઈ ભેટ આવી હતી. મુખ્તાર અબ્બાસ નકવીએ આંતરજ્ઞાતિય લગ્ન કર્યા છે. તેમને અલ્હાબાદમાં તેની પત્ની સીમા સાથે પ્રેમ થઈ રહ્યો અને બંને શહેરમાં મનગમતી જગ્યાએ અવારનવાર મળતા પણ હતા. બંનેએ ઓગણીસસો ત્યાસીમાં લગ્ન કર્યા હતા. મુખ્તાર અબ્બાસ નકવીના રાજકીય કરિયર અને તેમની લવ લાઈફ વિશે અવાર નવાર મીડિયામાં વાત થાય છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે, નકવીએ કોર્પોરેટ અને ટ્રાફિક સિગ્નલ જેવી ફિલ્મો માટે પટકથા પણ લખી છે. મધુર ભંડારકર દ્વારા નિર્દેશિત, 'કોર્પોરેટ' સ્ટાર્સ બિપાશા બાસુ, કે. કે. મેનન, રાજ બરબ્બર અને રજત કપૂર જેવા કલાકારોએ કામ કર્યું હતું. મુખ્યતાર અબ્બાસ નકવીએ કોરોના સમયગાળા દરમિયાન એક વર્ષમાં ત્રણ નવલકથાઓ પણ લખી હતી. તે હજી પણ પોતાનો ખાલી સમય લખવા અને વાંચવા માટે વાપરે છે. ગુજરાતનો પુન્ય પાકિસ્તાન માટે કરતો હતો જાસુસી, કેવી રીતે ઝડપાયો? ગુજરાત એટીએસએ તત્કાલીક બીએસએફ કર્મચારીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આ સાથે વધુ માહિતી પ્રાપ્ત કરવા ચૌદ દિવસમા રિમાન્ડની પણ માંગ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ભુજ બીએસએફ હેડક્વાર્ટર ખાતે પટાવાળા તરીકે નોકરી કરનાર નિલેશ બળિયા પાકિસ્તાની એજન્ટના પ્રેમજાળમાં ફસાઈ ગયો અને થોડા પૈસાની લાલચમાં પાકિસ્તાન માટે જાસૂસીનું કામ કરવા લાગ્યો અને બીએસએફની ગુપ્ત અને સંવેદનશિલ માહિતી પાકિસ્તાન એજન્ટને મોકલવા લાગ્યો. ગુજરાત એટીએસને માહિતી મળતા ટેક્નિકલ રીતે તપાસ કરી બીએસએફના પ્યૂનને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. કેવી રીતે ઝડપાયો? ગુજરાત એટીએસ દ્વારા જણાવ્યા અનુસાર, ગુજરાત એટીએસના પીઆઈ ડી બી સબીયાને માહિતી મળી કે, ભુજના બીએસએફ હેડક્વાર્ટરમાં નોકરી કરતા નિલેષ વાલજીભાઈ બળીયા બીએસએફ સુરક્ષાને લગતી સંવેદનશિલ માહિતી પાકિસ્તાનના એજન્ટને વોટ્સઅપથી મોકલે છે. પોલીસે પૂછપરછ હાથ ધરી, જેમાં આરોપી નિલેષ પાંચ વર્ષથી ભુજ બીએસએફ ખાતે ઈલેક્ટ્રીક વિભાગની ઓફિસમાં પટાવાળા તરીકે નોકરી કરતો હોવાનું સામે આવ્યું.